ચૌદમી એપ્રિલ સુધી ચાલનારી આ ખાસ ઝુંબેશ અંતર્ગત બધા જ જીલ્લાઓમાં ખાસ રસીકરણ ઝુંબેશનો આરંભ થયો છે. અમેરિકાએ કોવિડનો રોગચાળો કેવી રીતે અને કયા સ્થળેથી શરૂ થયો તેના તપાસની માંગણી દોહરાવી છે . હરીદ્વાર કુંભ, ઉત્તરાખંડના હરીદ્વાર ખાતે આજે સોમવતી અમાવસ્યા નિમિત્તે ભાવિકો ગંગામાં મોટી સંખ્યામાં સ્નાન કરી રહ્યા છે . પશ્ચિમ બંગાળ ,પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આ સાથે વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી માટેનો પ્રચાર પણ ચાલી રહ્યો છે .ટીએમસીના વડા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાદીયા અને ઉત્તર ચોવીસ પરગણામાં ચાર રેલીઓમાં સંબોધન કરશે. વિદેશમંત્રી એન્ટોની બ્લિકને કોવિડ રોગચાળાના શરૂઆતના તબક્કામાં ચીને પારદર્શક નીતિ નહીં અપનાવી હોવા બાબતે તેની કડક શબ્દોમાં ટીકા કરી છે. કુંભમેળા વહિવટીતંત્રની માર્ગદર્શિકા મુજબ પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને દિલ્હીથી ઘણા ભાવિકો અગાઉથી નોંધણી કરીને ગઈરાત્રે હરિદ્વાર પહોંચ્યા હતા .ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ગઈકાલથી ચાર દિવસીય કોવિડ રસીકરણ અભિયાનની ખાસ ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો. કોવિડથી પાંચ સો પાંસઠ લોકોનાં સાજા થવાની સાથે તેલંગનામાં કુલ સાજા થવાનો દર બાણું વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા. મહિને બહાર પાડેલા અહેવાલમાં નોંધ્યું હતું કે કોવિડ રોગચાળો કેવી રીતે શરૂ થ્યો તે અંગે ચોક્કસ માહિતી મળતી નથી .એવી જ રીતે વિજળીના થાંભળો ધરાશાયી થતાં વિજ પુરવઠાને અસર થઈ છે. રસીકરણ ઝુંબેશ ગુજરાતમાં કોવિડ સામેની લડતના ભાગરૂપે ખાસ રસીકરણ ઝુંબેશનો ગઈકાલથી આરંભ થયો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્ મોદી વર્ધમાન કલ્યાણી અને બારાસાત મતવિસ્તારોમાં જાહેરસભાઓ યોજશે . વાવાઝોડાના કારણે ઘર તુટી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે વિવિધ રાજકીય દળોના નેતાઓ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે .આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં એકવીસ લાખ અઠ્ઠાવન હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી અને બંગાળના મુખ્યમંત્રી આજે વિવિધ જગ્યાએ જાહેરસભાને સંબોધશે. રાજ્યમાં કુલ મૃત્યુની સંખ્યા સત્તર હજાર પાંસઠ સુધી પહોંચી ગઈ છે એવી જ રીતે સંયુક્ત મોરચાના અગ્રણીઓ પણ વિવિધ મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે. કોવિડ વેક્સિનેશન અપડેટ, દેશમાં અત્યાર સુધીમાં દસ કરોડ પિસ્તાલીસ લાખથી વધુ કોવિડની રસી આપવામાં આવી છે .કેન્ સરકાર દ્વારા ગઈકાલથી શરૂ થયેલી કોવિડ રસીકરણની ખાસ ઝુંબેશના પહેલા દિવસે સત્તાવીસ લાખ સાઈઠ હજાર લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. લિયા વાવાઝોડું પશ્ચિમ ઓસેયાલિયામાં એક સો સિત્તેર કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ત્રાટકેલા સીરોજા ચક્રવાતના લીધે એક હજાર કિલોમીટર વિસ્તારમાં મોટાપ્રમાણમાં નુકસાન થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં કોવિડ રોગચાળાના કેસોમાં અચાનક તીવ્ર વધારો થયો છે અને હાલ દેશભરમાં અગિયાર લાખથી વધુ કોવિડના સક્રિય દર્દીઓ છે જેથી કોવિડ દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમ ડેસિવીર ઇંજેક્શનની માંગ પણ ઝડપથી વધી છે. આગામી દિવસોમાં પણ તેની માંગ વધી શકે છે. મંત્રાલય દ્વારા રેમડેસીવીરના તમામ ઘરેલું ઉત્પાદકો દવાનો જથ્થો રાખનાર અને આ દવાના વિતરકોની વિગતો વેબસાઈટ પર પૂરી પાડવાની સલાહ આપવામાં આવી છે જ્યારે હાલમાં એકવીસ હજાર આઠસોથી વધુ લોકો સંક્રમિત છે।